પહેલા એવી અટકળો હતી કે કે મુખ્યમંત્રીનું પદ છોડી શકે છે પણ હવે તેમણે રાજીનામું નહીં આપવાનો નિર્ણય કર્યો છે. તેમના સમર્થકોએ તેમના સમર્થનમાં ભારે હંગામો કર્યો અને તે તેમના નિવાસસ્થાન સુધી પહોંચી ગયા હતા. બિરેન સિંહ વીસ ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળવા જઈ રહ્યા હતા પરંતુ મોટી સંખ્યામાં લોકો તેમના ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. જેમણે તેમને ત્યાં જ રોક્યા હતા. આ પછી તેમણે સીએમ પદેથી રાજીનામું ન આપવાનો નિર્ણય કર્યો હતો અને ટોળાએ તેમનું રાજીનામું પણ ફાડી નાખ્યું હતું. થી લઈને એ મેદાનમાં કૂદવું પડ્યું કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? બિરેન સિંહ બપોરે બે વીસ વાગ્યે તેમના નિવાસસ્થાનથી નીકળ્યા હતા કારણ કે તેઓ બપોરે ત્રણ વાગ્યે રાજ્યપાલ અનુસુયા ઉલ્કે સાથે મુલાકાત કરવાના હતા. તેમની સાથે વીસ ધારાસભ્યો પણ હતા. રાજ્યપાલને મળવા માટે જ્યારે તેઓ બધા સીએમ આવાસથી બહાર નીકળ્યા તો એક ટોળાએ તેમને ઘેરી લીધા. ત્યારબાદ તેમને પરત ફરવું પડ્યું. થોડા સમય બાદ પીડબલ્યુડી મંત્રી અને સરકારના કેટલાક અન્ય લોકો બહાર આવ્યા. આ પણ વાંચો નામો ભૂંસી નાખ્યા અને બદલાયા, ઘરો સળગ્યા મણિપુરમાં કુકીઓ અને મેઇટી વચ્ચે વિભાજનની ઊંડી ખાઈ ત્રીસ, જેમાંથી એક મંત્રી સુસિડ્રો મેટિટેઈએ મુખ્યમંત્રીનો રાજીનામાનો પત્ર વાંચીને ત્યાં હાજર મહિલાઓને સોંપ્યો હતો, જેમણે આ પત્ર ફાડી નાખ્યો હતો. સરકારના પ્રવક્તા અને મંત્રી સપમ રંજન સિંહે કહ્યું કે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાછા આવ્યા બાદ અમે તેમને લોકોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને રાજીનામા પર પુનર્વિચારણા કરવા વિનંતી કરી હતી સીએમને સમજાવ્યા બાદ કેટલાક મંત્રીઓ લોકોને જણાવવા માટે નીકળ્યા હતા કે તેઓ રાજીનામું ન આપવા માટે સંમત થયા છે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે રાહુલ ગાંધી બે દિવસના મણિપુરના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે હિંસાગ્રસ્ત ચુરાચંદપુર અને મોઈરાંગમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને પીડિતોને પણ મળ્યા હતા. રાહુલ ગાંધીએ રાજ્યમાં સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો સાથે પણ મુલાકાત કરી હતી. મૈતેઈ અને કુકી સમુદાયના તણાવને કારણે હજારો લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. હાલ લગભગ ત્રણસોથી વધુ રાહત શિબિરોમાં લગભગ પચાસ હજાર લોકો રહી રહ્યા છે. આ હિંસક ઘટનાઓમાં અત્યાર સુધીમાં એકસો વીસ લોકોએ જીવ ગુમાવ્યો છે. મૈતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિ નો દરજ્જો આપવાની માંગના વિરોધમાં ત્રણ મેના રોજ પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યા બાદ મણિપુરમાં વંશીય અથડામણો જોવા મળી હતી. જેણે પાછળથી હિંસાનું સ્વરૂપ લીધું હતું. ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ ભાજપ મણિપુરહિંસા મેટ્રોમાં સવાર થઈને દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં સામેલ થવા પહોંચ્યા, પીએમ મોદીએ યાત્રીઓના જાણ્યા હાલ મેટ્રોમાં સવાર થઈને દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં સામેલ થવા પહોંચ્યા, પીએમ મોદીએ યાત્રીઓના જાણ્યા હાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિશ્વવિદ્યાલયની મુલાકાત લેવા માટે શુક્રવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીના લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશનથી વિશ્વ વિદ્યાલય મેટ્રો સ્ટેશન સુધી સવારી કરી હતી.